જે લગભગ પૃથ્વીના અક્ષીય નમાવ બરાબર જ છે. પરિણામ સ્વરૂપ મંગળ ગ્રહ પર પણ પૃથ્વી જેવું જ ઋતુ ચક્ર છે. જોકે મંગળ ગ્રહ પર આ ઋતુચક્ર પૃથ્વી કરતાં બે ગણું લાબું છે. વર્તમાનમાં મંગળના ઉત્તરી ધ્રુવની સ્થિતિ ડેનેબ તારાની નજીક છે. મંગળ ગ્રહ પર વાતાવરણ કેવું છે? મંગળ ગ્રહ પર વાતાવરણ પૃથ્વી કરતાં ઘણું જ અલગ છે. મંગળ ગ્રહ પર વાતાવરણમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયું છે. જે અંદાજે પંચાણુ ટકા જેટલો છે. જ્યારે અત્યંત સૂક્ષ્મ પ્રમાણમાં બાકીના ઘટકોમાં નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન, આર્ગન સહિત વાયુઓ છે. મંગળની સપાટી પથરાળ અને પહાડી છે. અહીં સામાન્ય રીતે તાપમાન હંમેશા નીચું રહે છે. અહીં મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પંચાશી ડિગ્રી છે. વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. મેષ રાશિફળ: ગણેશજી કહે છે કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. તેથી તમારી વિચારસરણી નવીન હશે. બીજાઓને મદદ કરવાથી આધ્યાત્મિક સુખ મળી શકે છે. અગન્ત કામ પણ શાંતિથી ઉકેલાશે. કારણ વગર કોઈ નજીકના સંબંધી સાથે વિવાદમાં ન પડવું. જો કે ટૂંક સમયમાં હકીકત બહાર આવી શકે છે. બાળકોને કોઈ સમસ્યા હોય ત્યારે અનુભવી વ્યક્તિની સલાહ લેવી. બિઝનેસ સાથે જોડાયેલા કોઈપણ કામમાં વધારે રોકાણ ન કરો. જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમને ઘરમાં સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. વૃષભ રાશિફળ: ગણેશજી કહે છે કે વડીલ સભ્યનું માર્ગદર્શન અને સલાહ આજે તમારા માટે વરદાન સાબિત થશે. કોઈ મહત્વપૂર્ણ કામ પણ સમયસર પૂર્ણ થઈ શકે છે. કોઈ પણ સમસ્યા મિત્ર સાથે ફોન પર વાત કરીને પણ ઉકેલી શકાય છે. ખર્ચને લઈને ખૂબ ઉદાસીન ન બનો. પોતાને નુકસાન પહોંચાડવાને બદલે સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવાનો જરૂરી છે. ભાડા સંબંધિત બાબતો અંગે દલીલો જેવી સ્થિતિ બની શકે છે. વ્યવસાય મુજબની સ્થિતિ હાલમાં પ્રતિકૂળ છે. પારિવારિક વાતાવરણ મધુર બની શકે છે. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ થઈ શકે છે. મિથુન રાશિફળ: ગણેશજી કહે છે કે તણાવથી બચવા માટે કલાત્મક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. તેનાથી તમને સકારાત્મક અનુભૂતિ થશે અને તમારી યોગ્યતા અને કુશળતા પણ બહાર આવી શકે છે. ઘરના કોઈ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવામાં પણ તમે સહયોગ કરશો. બહારના લોકોને ઘરમાં દખલ ન કરવા દો. કોઈની નકારાત્મક ટિપ્પણી પર ગુસ્સે થવાને બદલે શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધો. વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસને બદલે અભ્યાસેતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ધંધાકીય પ્રવૃત્તિઓ સુસ્ત રહી શકે છે. પરિવારના સભ્યો સાથે ઓનલાઈન શોપિંગમાં સમય પસાર થઈ શકે.